તે મારી અત્યાર સુધીની પહેલી હવામાનની હડતાલ હતી અને એક અતિ વિચિત્ર ગોઠવણ હતી. ફક્ત હું અને તે ત્યાં બેઠા આ કોન્ફરન્સ હોલમાં. આ વ્યવસ્થા દ્વારા ઘેરાયેલા દાવો પહેરેલા કોન્ફરન્સ ભીડમાં જેમને અમારી સાથે શું કરવું તે અંગે કોઈ ખ્યાલ નહોતો. અને હજુ સુધી આ વધુ શક્તિશાળી લાગ્યું કે કંઈપણ કરતાં મારી અપેક્ષા ખૂબ લાંબા સમયની હતી. અને તે સાચો હતો મને લાગ્યું કે કદાચ સમય આવી ગયો છે જર્મનીમાં પ્રહાર શરૂ કરવા માટે. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે બીજું કોઈ અમારા માટે આ ઠીક કરશે નહી અને ત્યાં માત્ર થોડી તક હતી કે આ તફાવત લાવી શકે. તે લગભગ મૂર્ખ લાગ્યું કે ત્યાં જવા માટે નથી. તેથી હું પાછા બર્લિન ગઈ. મને જે સાથી હતા તે તે જ સમયે તે જ વિચારવાળા. દેખીતી રીતે, અમને કોઈ ખ્યાલ નહોતો અમે શેમાં પ્રવેશતા હતા. અમારી પ્રથમ હડતાલ પહેલાં મારા સહિત ઘણા લોકોએ ક્યારેય જાહેર પ્રદર્શનનું આયોજન કર્યું ન હતું અથવા પહેલા કોઈપણ પ્રકારનો વિરોધ. અમારી પાસે પૈસા અને સાધન નહોતા અને સંપૂર્ણપણે કોઈ વિચાર ન હતો કે આબોહવા પ્રહાર ખરેખર શું છે. તેથી અમે તે કરવાનું શરૂ કર્યું જેમાં અમે સારા હતા. અમે લખવાનું શરૂ કર્યું. રાત અને દિવસ દરેક જણ અમે પહોંચી ગયા. અમારુ પ્રથમ આયોજન હવામાન હડતાલ વોટ્સએપ દ્વારા અમારી પ્રથમ હડતાલની આગલી રાત હું ખૂબ ચિંતિંત હતી. હું સૂઈ શકી ન હતી. મને ખબર નથી કે શું અપેક્ષા રાખવી પરંતુ હું સૌથી ખરાબ અપેક્ષા રાખતી હતી. કદાચ તેનુ કારણ હતું કે અમે એકલા જ નહોતા જેને રાજકીય વાતાવરણમાં અવાજ આવે તે માટે ઝંખના હતી. તે મોટે ભાગે ભૂલી ગયા હતા કે કેવી રીતે યુવાનોના પરિપ્રેક્ષ્યમાં શામેલ થવું. પરંતુ કોઈક રીતે આ કામ કર્યું અને એક દિવસથી બીજા દિવસે અમે બધા સ્થળ પર હતા. સામાન્ય રીતે, હું કહીશ કે તે કેવી રીતે વધુ પડતી આશાવાદી છે. અમે યુવાન લોકો કેવી રીતે આને ટૂંકુ કરવા અમે ભવિષ્યને કેવી રીતે બચાવવા જઈએ છીએ અને ગ્રહ અને બીજું બધું. અમે યુવાન લોકો કેવી રીતે આબોહવા માટે આકર્ષક છીએ. આને ઠીક કરવા જઈ રહ્યા છે. પરંતુ આ તે કેવી રીતે કાર્ય કરે છે તે નથી. આ કટોકટી કેવી રીતે કાર્ય કરે છે તે આ નથી. અહીં એક વળાંક છે.